તે માત્ર શાંતિપૂર્ણ વાતાવરણ નહીં પરંતુ બાળકોને આરામ કરવામાં પણ મદદ કરે છે. તે બાળકોમાં ઊંઘની પેટર્ન સુધારવા માટે પણ જાણીતું છે. જાંબલી બાળકને આરામ કરવામાં મદદ કરે છે. લાઉડ કલર્સ ટાળો. બાળકો માટે રૂમ ડિઝાઇન કરતી વખતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા રંગો ઘાટા પીળા અથવા કેરી નારંગી છે. જો કે, વાસ્તુ અનુસાર બાળકોના રૂમની ડિઝાઇન કરતી વખતે તમારે આવા રંગો ટાળવા જોઈએ. એટલા માટે છે કારણ કે રંગો બાળકો માટે ધ્યાન કેન્દ્રિત કરવું અને આરામ કરવાનું મુશ્કેલ બનાવી શકે છે. ખૂબ તેજસ્વી રંગો ટાળો. લાલ રંગ નકારાત્મક હોઈ શકે છે. તમારા બાળકના રૂમમાં ઘણા બધા લાલ રંગનો ઉપયોગ કરવાથી તેમના ગુસ્સામાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, લાલ, વાદળી અથવા પીળાના હળવા શેડ્સ સાથે વળગી રહેવું શ્રેષ્ઠ છે. વધુ પડતા લાલ રંગનો ઉપયોગ કરવાનું ટાળો. નારંગી રંગ વિવેક, બુદ્ધિ સાથે વાસ્તુશાસ્ત્રની માર્ગદર્શિકા મુજબ, જો રૂમમાં સીધો સૂર્યપ્રકાશ આવે તો તમારે તમારા બાળકના રૂમને નારંગી રંગથી રંગવાનું ટાળવું જોઈએ. જો તે થાય, તો તમે આગળ વધી શકો છો અને સની રંગમાં રૂમને તેજસ્વી બનાવી શકો છો. નારંગી ટાળો. વા ઘાટો વાદળી રંગ એક નંબર છે તમારા બાળકોના રૂમને વાસ્તુ અનુસાર બનાવવા માટે. એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ઘેરા વાદળીનો ઉપયોગ કરવાનું ટાળો. રંગ તમારા બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમારા બાળકના રૂમમાં ઘેરા વાદળી રંગનો ઉપયોગ કરવાનું ટાળો. કાળા રંગને ના કહો. બેડશીટ, વોલપેપર, ગોદલા, પડદા અને કાળી કાર્પેટનો ઉપયોગ કરવાનું ટાળો. રંગ ઘણી નકારાત્મક લાગણીઓને જન્મ આપે છે અને વાસ્તુ અનુસાર બાળકોના રૂમમાં આવવાનું ટાળવું જોઈએ. કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળો. સ્ટડી ટેબલનો રંગ વાસ્તુ નિષ્ણાતો પીળા કલરના સ્ટડી ટેબલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. પીળો રંગ જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે અને તમારા બાળકોને વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ પસંદગી છે. પીળો એકાગ્રતામાં સુધારો કરે છે. દરવાજા માટે પેસ્ટલ્સ. પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ખુલતી બારીઓ અને દરવાજા પર તેજસ્વી રંગોનો ઉપયોગ કરવાનું ટાળવું સારું છે. એટલા માટે છે કારણ કે પશ્ચિમ અથવા દક્ષિણ તરફ ખુલતા તેજસ્વી દરવાજા તમારા બાળકના વર્તન પર નકારાત્મક અસર કરી શકે છે. તેજસ્વી રંગીન દરવાજા અથવા બારીઓ ટાળો. વાસ્તુ મુજબ બાળકોના રૂમ માટે કલર કોમ્બિનેશનનો સારાંશ વાસ્તુશાસ્ત્ર રંગો પર ખૂબ ભાર મૂકે છે. તમારા બાળકના બેડરૂમની ડિઝાઇન બનાવતી વખતે ખાતરી કરો કે તમે વાસ્તુ પ્રમાણે રંગોનો ઉપયોગ કરો છો. કરવાથી તમારા બાળકોને આરામ, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સામાન્ય રીતે સારું અનુભવવામાં મદદ મળી શકે છે.